પરંતુ અત્યાર સુધી માનહાની કેસને પગલે રાહુલ ગાંધી વડા પ્રધાનપદની રેસમાંથી બહાર થઈ ગયા હતા, તેથી કોંગ્રેસની સોદાબાજીની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ જમીન પરના ઘણા સમીકરણો ફરી બદલાવાના છે. કૉંગ્રેસ હાલમાં ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે, પરંતુ રાહુલ ગાંધીને મોદી સરનેમના કેસમાં સજા કરવામાં આવી હોવાથી, પાર્ટી ખુલ્લેઆમ કોઈ પણ ચહેરાને પોતાની બાજુથી આગળ કરી શકી ન હતી. તેમના માટે રાહુલ ગાંધી સૌથી મોટા સ્ટાર પ્રચારક હતા, પરંતુ એક પ્રતીતિને કારણે પાર્ટીને અન્ય વિપક્ષી પાર્ટીઓ સામે ઝુકવાની ફરજ પડી હતી. થી લઈને એ મેદાનમાં કૂદવું પડ્યું: કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? શરદ અને અજિત પવાર વચ્ચે એક કલાક 'ગુપ્ત બેઠક' ચાલી ભારત જોડો પ્રવાસ પછી રાહુલની ઈમેજ બદલાઈ? ભારત જોડો યાત્રા બાદથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પોતાની છબી બિલકુલ બદલી દીધી છે. જે રીતે તેણે દેશનાં ઘણાં રાજ્યોને દક્ષિણથી ઉત્તર, પૂર્વથી પશ્ચિમ સુધી આવરી લીધાં, તેની લોકપ્રિયતા વધી. આ જ લોકપ્રિયતાના આધારે પાર્ટીએ કર્ણાટક ચૂંટણીમાં જંગી જીત નોંધાવી હતી. હવે એ મુલાકાતનો વધુ ફાયદો ઉઠાવવામાં આવે એ પહેલા રાહુલને મોદી સરનેમના મામલે તેમની કારકિર્દીનો સૌથી મોટો ફટકો પડ્યો. એવો ફટકો પડ્યો કે, તેમના પાસેથી સાંસદ પદ છીનવી લીધુ અને તેઓ સીધા પીએમની રેસમાંથી બહાર થઈ ગયા. અત્યાર સુધી, કારણ કે રાહુલ સંસદ સભ્ય ન હતા, કોંગ્રેસ પાસે અન્ય વિપક્ષી પક્ષો સામે બતાવવા માટે કંઈ ખાસ નહોતું. વિપક્ષી એકતાની જે બે બેઠકો યોજાઈ હતી, તેમાં માત્ર એટલી જ ચર્ચા થઈ હતી કે અમે સાથે મળીને ચૂંટણી લડીશું, એક સામાન્ય એજન્ડા હશે. પરંતુ સૌથી મોટા પ્રશ્નનો જવાબ કોઈ આપી શક્યું ન હતું – મોદી વિરુદ્ધ કોણ. હવે સમય આ્યો લાગે છે, જ્યાં સમગ્ર રમત બદલાઈ જવાની છે. હવે કોંગ્રેસ ખુલ્લેઆમ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી શકે છે. પ્રશ્ન એ છે કે, વિપક્ષના અન્ય નેતાઓ આ વાત સ્વીકારશે કે નહીં? રાહુલને મળેલી રાહતથી નું ગઠબંધન કેટલું ખુશ? હવે મીડિયાની સામે, ગઠબંધનના ઘણા મોટા ચહેરાઓ પણ રાહુલની સજા પર સ્ટેનું સ્વાગત જ કરશે, જો વદારે કહીએ તો કેટલાક ટ્વિટર પર ટ્વિટ કરશે અને તેમને અભિનંદન આપશે. પરંતુ રાજકારણમાં દરેક નિર્ણય મહત્વનો હોય છે. આ નિર્ણયની એવી અસરો પણ છે જે કદાચ વિપક્ષના નેતાઓને અત્યારે ગમશે નહીં. ગઠબંધનના પરિવારમાં રાહુલ ગાંધી સિવાય પીએમની રેસમાં કયા નેતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો? તે યાદીમાં રાહુલ ગાંધી સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એનસીપી પ્રમુખ શરદ પવાર જેવા નેતાઓને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યા હતા. આ એવા નેતાઓ હતા, જેમને ભારત ગઠબંધનનો સૌથી મોટો ચહેરો કહેવામાં આવી રહ્યો હતો. રાહુલની ગેરહાજરીમાં કોંગ્રેસના કોઈ પણ નેતાને 'મોટી જવાબદારી' આપવામાં આવી શકી હોત. પરંતુ હવે રાહુલ ગાંધી પરત ફર્યા છે, તે સ્થિતિમાં આ તમામ નેતાઓના દિલ્હી જવાના સપના પણ ચકનાચૂર થઈ ગયા છે.